આ વિશે આદિલ શેટ્ટી કહે છે કે તમારી આવક જેટલી વધારે તેટલો જ તમારો ટેક્સ વધારે હશે. તેઓ સમજાવે છે કે, કર કપાત એટલે કર મુક્તિ એ રકમ છે જે તમે તમારી આવકમાંથી બાદ કરી શકો છો. કર કપાત તમારી કર પાત્ર આવક ઘટાડે છે. આમ, તમારો એકાદર કુલ કર જવાબદારી પણ ઘટી જાય છે. ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુ ઈન્સ્ટ્રુમેન્ટ એકસાથે બે વસ્તુઓને આવરી લેય છે. પર્સનલ ફાઇનાન્સ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. બિન જરૂરી લાંબા ગાળા સુધી મૂડી અટકાઇ જવાની શક્યતા કેટલાક કર બચત સંશોધનોને લાંબા સમય સુધી નિયમિત રોકાણની જરૂર પડે છે અને આવી યોજનાઓના નિર્જવ વળતર આપે છે. ઉદાહરણ તરીકે, કેટલીક પરંપરાગત જીવન વીમા પૉલિસીઓ છે જેમાં એકવાર તમે રોકાણ કરવાનું શરૂ કરી દો, તો તમે ચોક્કસપણે લૉક-ઇન સમયગાળા દરમિયાન બહાર નીકરવાનું જોખમ લઈ શકતા નથી અને જો તમે આ સમયગારા દરમિયાન નિયમિતપણે રોકાણ કરો છો, તો તમે સંબંધિત પોલિસી કાર્યકાળ પૂર્ણ થયા પછી નિર્જવા વળતરનો લાભ મેળવો છો. જો આ ઇન્સ્યોરન્સ કવરની વાત કરીયે તો તમારે પોલિસી સબસ્ક્રાઇબ કરવી આવશ્યક છે. પરંતુ તમારા નાણાકીય લક્ષ્યાને પહોંચી વળવા માટે અલગથી રોકાણનું આયોજન કરવું જોઈએ. જ્યારે તમે એક સાથે વધુ લાભ મેળવી શકો ત્યારે બાંધછોડ કેમ કરવી, ફાઇનાન્સિયલ ટાર્ગેટ માટે જોખમ લેવા અને રોકાણ પર વધુ વળતરની જરૂર પડી શકે છે. જ્યારે તમે વધુ વળતર મેળવી શકો છો અને નિયમિત રોકાણ અસ્કયામતોમાં રોકાણ કરીને તમારા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરી શકો છો ત્યારે ટેક્સ-સેવિંગ સંશાનોમાં રોકાણ કરીને ઓછા વળતર માટે શા માટે સમાધાન કરવું? બેંક એફડી કે રિકિંગ ડિપોઝિટ કરાવવી છે? આમ કરવાથી વધુ વળતરનો લાભ લેવાની તક છે. બીજી તરફ, જો તમે માત્ર ટેક્સ બચાવવાના હેતુસર રોકાણ કરવાનું વિચારો છો, તો તમે તમારા પ્રોટોફોલિયાને વૈવિધ્યસભર બનાવી શકતા નથી. રોકાણવેપાર બેંક એફડી કે રિકિંગ ડિપોઝિટ કરાવી છે?